પરંતુ આ એ વર્તણૂકિક મોડેલ છે જેણે નવ ઉદારવાદી અર્થશાસ્ત્રને કડક બનાવ્યુ તે નૈતિક રીતે જીવલેણ છે. અને આ વિજ્ઞાન રીતે ખોટું છે કારણ કે જો આપણે આંકીટ મૂલ્યોનો સ્વીકાર કરીએ છીએ તે માણસ મૂળભૂત સ્વાર્થી છે અને પછી અમે વિશ્વભરમાં જુઓ તેમાં બધી સ્પષ્ટ સમૃદ્ધિ છે. તેથી તે તાર્કિક રીતે અનુસરે છે. પછી પરીભાષા દ્વારા તે સાચું હોવું જોઈએ તે એક અબજ લોકોના સ્વાર્થી કૃત્યો છે. જાદુઈ રીતે સમૃદ્ધિ અને સામાન્ય સ્વરૂપથી સારામાં બદલાઈ જાય છે. જો આપણે મનુષ્ય માત્ર સ્વાર્થી હોય તો સ્વાર્થ આપણા સમૃદ્ધિનું કારણ છે. પણ, આની જગ્યાએ આપડે નવીનતમ પ્રયોગમૂલક સંશોધન સ્વીકાર કરીએ છીએ વાસ્તવિક વિજ્ઞાન જે માનવીનું ચોક્કસ વર્ણન કરે છે. ખૂબ સહાયક, પારસ્પરીક અને સ્વાભાવિક રીતે નૈતિક જીવો રૂપમાં. પછી તે તાર્કિક રૂપે અનુસરે છે કે તે સહકાર હોવો જોઈએ. નહી કે સ્વાર્થ જે આપણી સમૃદ્ધિનું કારણ છે અને તે આપણો લોભ નથી જે માનવતાની આર્થિક મહાસત્તા છે. તેથી, આ નવા અર્થશાસ્ત્રની મધ્યમાં આપણી જાત વિશે એક વાર્તા છે જે પોતાને શ્રેષ્ઠ બનવાની મંજૂરી આપે છે અને જૂના અર્થશાસ્ત્રથી વિપરીત આ એક વાર્તા છે જે ઉમદા છે અને સાચા હોવાનો ગુણ પણ છે. હવે, હું આ પર ભાર મૂકું છું તે જોઈએ છે નવું અર્થશાસ્ત્ર. સિદ્ધાંતો અને મોડેલો વિકસિત અને શુદ્ધ કરવામાં આવી રહ્યા છે. વિશ્વભરની યુનિવર્સિટીઓમાં કેટલાક પર મકાન અર્થશાસ્ત્રમાં નવું શ્રેષ્ઠ સંશોધન, જટિલતા સિદ્ધાંત, ઉત્ક્રાંતિ સિદ્ધાંત, માનવશાસ્ત્ર અને અન્ય વિષયો. અને જોકે આ નવા અર્થશાસ્ત્રમાં હજી તમારી પોતાની પાઠયપુસ્તક અથવાતો સામાન્ય રીતે નામ ઉપર સંમત નથી, વ્યાપક શબ્દોમાં સમૃદ્ધિ ક્યાંથી આવે છે અર્થઘટન આ કંઈક આ રીતે છે. તેથી, બજાર મૂડીવાદ એક વિકાસવાદી સિસ્ટમ છે જેમાં સમૃદ્ધિ સકારાત્મક પ્રતિસાદ દ્વારા ઉભરી આવે છે. નવીકરણની માત્રામાં વધારોઅને ગ્રાહકોની માંગના વધતા જથ્થા વચ્ચે. નવીકરણ એ પ્રક્રિયા છે જેના દ્વારા આપણે માનવ સમસ્યાઓનું નિરાકરણ થાય છે. ઉપભોક્તા માંગ એ તે પદ્ધતિ છે જે દ્વારા દ્વારા બજાર ઉપયોગી નવી શોધો પસંદ કરે છે અને આપણે વધારે સમસ્યાઓનો ઉપાય લાવીએ છીએ. આપણે વધારે સમૃદ્ધ થઈ રહ્યા છીયે. હવે, જૂનું અર્થશાસ્ત્ર એકદમ સાચૂ છે. બજારો કેવી રીતે કાર્ય કરે છે આમાં સ્પર્ધા એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પરંતુ તે જોવા માટે જે નિષ્ફળ જાય છે તે છે મોટા પ્રમાણમાં ખૂબ સહકારી જૂથો વચ્ચે એક સ્પર્ધા છે. કંપનીઓ વચ્ચે સ્પર્ધા, કંપનીઓના નેટવર્ક વચ્ચે સ્પર્ધા.